હસમુખભાઇ પટેલના બે બાળકો કમલેશ અને હેતાર્થને પચાસ હજારનું બંડલ હાથમાં આવતા તેમણે પોતાના માતપિતાને સોંપી દીધું હતું તાપી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે કોરોના જેવા અનેક રોગ માં વેક્સિન રામબાણ ઈલાજ હોવાથી સંશય વગર સૌ રસી મુકાવે જેના ભાગરૂપે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ જેસલ તોરલ સમાધિ નવીનીકરણ કચ્છમાં અંજાર ખાતે આવેલી જેસલ તોરલ સમાધિ સ્થળના નવીનીકરણ માટે બે કરોડ સિત્તેર લાખ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે હવામાન ખાતાએ આજે જણાવ્યું છે કે રાજ્યમાં હવે કમોસમી વરસાદની શકયતા નહિવત છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્રવાસન વિભાગે આ વિકાસકામ માટે ભાવનગરના આર્કિટેકેટ ચિંતન સાચપરાની નિમણૂક કરી છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજયમાં માવઠું પાડવાની શક્યતા નહિવત છે જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે ની શરૂઆત સરકારી કોલેજમાં થતાં અઢાર યુવા તેમાં કેડેટ તરીકે જોડાયા છે તેમજ સાત દિવસ માટે શાળા બંધ કરી દેવામાં આવી છે તેમણે ઉમેર્યું છે કે અનેક બિમારીમાં માનવ મૃત્યુ રોકવા માટે વેક્સિન રામબાણ ઈલાજ સાબિત થઈ છે એ ટલે ભય કે સંશય રાખ્યા વગર રસી લેવા માટે સૌ આગળ આવે માત્ર બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે દરમ્યાન આજ રાજયમાં કોરોનાના નવા કેસો પણ નોધાયાં છે તેમણે કહ્યું કે રાજયમાં આગામી બે દિવસ બાદ ગરમીના પ્રમાણમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના છે સાત દિવસ શાળા બંધ કરવાની ફરજ પડતાં પરીક્ષાને પણ મોકૂફ રાખવામાં આવી છે ચૌધરી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના કર્મચારીઓએ પણ કોવીક્સીનના બંને ડોઝ લીધા હતા તેઓ ખરેડી ગામની પ્રાથમિક શાળા જોવા માટે પણ ગયા હતા અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી મહીસાગર આત્મા પ્રોજેકટ મહિસાગર જિલ્લામાં રાજપુર ગામે ખેડૂતોને કૃષિ ટેકનૉલોજિમાં આવેલા આધુનિક સંશોધનથી વાકેફ કરતી શિબિર યોજાઈ ગઈ સાત જેનું આયોજન આત્મા એજન્સીએ કર્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માટે નું મતદાન અઢાર એપ્રિલે અને મત ગણતરી વીસ મી એપ્રિલે યોજાશે આ કોરોના ફેલાતો રોકવા માટે સુરતની બધી ટેક્સ્ટાઈલ માર્કેટ શનિ રવિ બંધ રહેશે તો શાળા માં વિદ્યાર્થી અને શિક્ષક સંક્રમિત બને સાત તેવા દાખલા પણ આજે નોંધાયા પરીક્ષાના પેપરો શાળા કક્ષાએથી જ સેટ કરવામાં આવ્યા હોવાથી આ પરીક્ષા શાળા ખુલ્યથી લેવામાં આવશે દાહોદની મુલાકાત દરમ્યાન બંને ઉચ્ચ અધિકારીઓ આદિવાસી કલ્યાણને લગતી યોજનાના અમલનો પણ અભ્યાસ કરવાના છે બે લાખ બ્યાસી હજાર નવ સો ઈઠ્યાસી મતદાર નોંધાયેલા છે તેવી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન અઢાર એપ્રિલે અને મતગણતરી વીસ મી એપ્રિલે યોજાશે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બાવન વર્ષ પછી નેશનલ કેડેટ કોર એ ટલે કે એન કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કોરોના ફેલાતો રોકવા સુરતમાં આ શનિવાર અને રવિવારના રોજ તમામ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ બંધ રહેશે લલિત લા અને કાર્યાલય અધ્યક્ષ સતીષકુમાર શર્મા આવ્યા હતા।